હનુમાન ઉર્ફે પવનપુત્ર, અંજનીપુત્ર, પરમ રામભક્ત, મહાવીર, મારુતિ વગેરે વગેરે નામોથી પણ ઓળખાય છે. હનુમત્નો યોગિક અર્થ હનુ એટલે હડપચીવાળું એવો થાય છે. રૂઢિથી એ અર્થ સંકડાઈ ને હનુમાન નામના વાનરદેવ, જેની હડપચી બહાર પડતી છે તે એવો થાય છે. ચાલો આજે હનુમાન અંગેની કેટલીક રસપ્રદ વાતો જાણીએ. હનુમાન કપિરાજ પવન અને અંજનીના પુત્ર હતા જે મારુતિ નામથી ઓળખાય છે. વળી તે રામના એક બળવાન વાનર ભક્ત તરીકે પણ પ્રખ્યાત છે. ભગવદ્ગોમંડલ અનુસાર સૂર્યના વરદાનથી સોનાના બનેલા મેરુ પર્વત ઉપર કેસરી નામે એક વાનર અને તેની સુંદર સ્ત્રી અંજની રહેતા હતા. અંજની એક વખત પર્વત ઉપર ફરતી હતી, તેને જોઈને વાયુને કામ વ્યાપ્યો અને તેણે પોતાનું વીર્ય અંજનીના કર્ણ દ્વારા મૂક્યું જેથી અંજનીને ગર્ભ રહી હનુમાનનો જન્મ થયો. પુત્રજન્મ થયા પછી તરત જ અંજની ફળ લેવા જંગલમાં ગઈ અને ભૂખ લાગવાથી હનુમાને રડવા માંંડ્યું. તેવામાં ઉદય પામતા સૂર્યને જોઈ હનુમાને તેને ફળ ધાર્યું અને તે લેવાને કૂદકો માર્યો. જ્યારે હનુમાને સૂર્ય તરફ કૂદકો માર્યો ત્યારે વાયુ હિમ જેવો થઈ સૂર્યના તાપથી તેનું રક્ષણ કરતો હતો. હનુમાન જ્યારે સૂર્ય પાસે પહોંચ્યા ત્યારે તે વખતે સૂર્યગ્રહણ હતું એટલે રાહુ સૂર્યને ગ્રહણ કરવા જતો હતો પણ હનુમાનની હડફટમાં આવવાથી ત્રાસ પામીને દૂર નાસી ગયો. રાહુ ક્રોધ પામી ઇન્દ્ર પાસે ગયો અને ત્યાં જઈ 'મને આપેલ ભક્ષ્ય બીજો કેમ લઈ જાય છે? ' એમ કહ્યું. આથી ઇન્દ્ર ઐરાવત ઉપર આરુઢ થઈ તેની સાથે સૂર્ય અને હનુમાન જ્યાં હતા ત્યાં ગયા. રાહુ સૂર્ય પાસે આવ્યો એટલે તેને પણ ફળ ધારી હનુમાન તેને પકડવા કૂદ્યા જેથી રાહુ નાસવા માંડ્યો અને ઇન્દ્રને પોતાનું રક્ષણ કરવા કહ્યું. એટલામાં હનુમાન ઐરાવતને પણ ફળ ધારી તેને લેવા દોડ્યા. આથી ગુસ્સે થઈ ઇન્દ્રે વજ્રનો અગ્રભાગ હનુમાનને માર્યો જેથી તે પર્વત ઉપર પડ્યા અને તેમની હડપચી એટલે કે હનુ ભાંગી ગઈ. આ જોઈ વાયુદેવ ગુસ્સે થઈ પોતાના પુત્રને લઈ એક ગુફામાં ભરાઈ ગયા અને પોતાનો પ્રચાર બધેથી બંધ કર્યો. વાયુએ પોતાનો પ્રચાર બંધ કરતા ત્રણે લોકમાં દેવ, અસુર અને મનુષ્ય સર્વે દુખી થઈ ગયા. દેવો પ્રજાપતિ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી. પ્રજાપતિ બધા દેવો સાથે વાયુદેવ હતા ત્યાં ગયા અને હનુમાનને પંપાળ્યા જેથી હનુમાન ફરી જીવિત થયા. આથી પ્રસન્ન થઈ વાયુ પૂર્વવત વહન કરવા લાગ્યા અને સર્વ દેવોએ તેને વરદાન આપ્યા. ત્યારબાદ બ્રહ્માએ કહ્યું કે, 'હે વાયુ! તારો વીરપુત્ર મારુતિ શત્રુને ત્રાસ ઉપજાવનાર અને ઘણો બળવાન થશે; તેની ગતિ કોઈ અટકાવી શકશે નહિ. ' વાયુ પોતાના